કલ્પના શાહ રાષ્ટ્રપતિકચ્છ મુલાકાતે કચ્છમાં ધોરડો ના શ્વેત રણ માં દર વર્ષે યોજાતા રણોત્સવનું ચાલુ વર્ષે ભલે હજી સત્તાવાર ઉદ્ધાટન થયું નથી પરંતુ પ્રવાસીઓનો ભારે ધમધમાટ શરુ થઇ ચુક્યો છે ત્યારે ચાલુ માસના અંતમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણોત્સવની મુલાકાતે આવી રહ્યા છે તેવા અહેવાલ સાંપડ્યા છે પાર મુકવામાં આવશે કલ્પના શાહ હવામાન જિલ્લામાં ગઈકાલે વાદળછાયા વાતાવરણને પગલે પશ્ચિમ વિક્ષોભની અસર હેઠળ મંદ આવેલી ઠંડી બફારામાં પલટાઈ હતી ગઈકાલે નલિયા ખાતે સૌથી નીચું ઉષ્ણતામાન સાત ડિગ્રી સેલ્સિયસ જયારે સૌથી ઊંચું તાપમાન ત્રીસ ડિગ્રી જયારે જિલ્લા મથક ભુજ ખાતે સૌથી નીચું તાપમાન ઓગણિસ અને હવે ગમે ત્યારે ઠંડા પવનો સાથે ઠંડીનો દોર શરુ થાય તેવું મનાઈ રહ્યું છે આ રસીકરણ અભિયાનમાં સૌ પ્રથમ કોવિડ નાઈટીન ની કામગીરી સાથે જોડાયેલા હેલ્થકેર વર્કરોને આવરી લેવાના સરકારની માર્ગદર્શિકા મુજબ સુરત પાલિકાએ હેલ્થ વર્કરોની પણ યાદી તૈયાર કરી હોવાનું કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં તેમનએ કહ્યું જણાવ્યું છે પોરબંદરમાં બસ્સો ચૌદ અનાથ બાળકોને સહાયની ચુકવણી કરાઈ છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળકના સર્વાગી હિતને ધ્યાને લઇ પાલક માતા પિતા યોજના મદદરૂપ બને છે આ યોજનાથી કરજણ અને શિનોર તાલુકાનાં એક સો ત્યાસી ગામોને પીવાનું શુધ્ધ પાણી મળશે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ આ પ્રસંગે બોલતા જણાવ્યું કે ઉંમરપાડાડેડીયાપાડામાં ઉચ્ચ ઈજનેરી કૌશલ્ય વડે ત્રેપન માળ જેટલી ઉંચાઈ સુધી પાણી લિફ્ટ કરી પાણી પૂરું પાડવાથી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલાશે અકસ્માત નર્મદા જિલ્લામાં થયેલા બે માર્ગ અકસ્માતોમાં ચાર વ્યકિતીઓના મોત થયા છે રસી આપવા માટે રાજયમાં પૂરતા પ્રમાણમાં તાલીમબધ્ધ માનવબળ તૈયાર છે હાલ રસી કેરીયર તથા રસીકરણ કેન્દ્રો નક્કી કરાયા છે આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની પ્રોત્સાવહક કામગીરીને બિરદાવવા આઈ શ્રી પટેલે ઉમેર્યું કે રસી સાચવવા માટે રાજ્યમાં કોલ્ડ ચેનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના ધરોળી ગામના બસ સ્ટેન્ડન્ડ પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિતનાં મોત નીપજ્યા છે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડસ અને ત્યારબાદના તબક્કામાં પચાસ વર્ષથી વધુ ઉમરનાં લોકોને રસી અપાશે જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે આ સિંચાઈ યોજના દ્વારા ઉંમરપાડાડેડીયાપાડા તાલુકાનાં તોતેર ગામોની જમીનને સિંચાઈની સગવડ મળશે આંગણવાડી તેડાગર બહેનોને રૂા આ પ્રસંગે શ્રી રૂપાણીએ સૈનિક સ્કૂલના વિધાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાય અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા વ્યકત કરી હતી અને ખેડૂતોની સમૃધ્ધિના દ્વાર ખુલશે જિલ્લામાં આજે અઢાર દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી ડાંગ જિલ્લામાં આજ દિન સુધીમાં પોઝીટીવ કેસની સંખ્યા એક સો બાવીસ છે તે પૈકી છ દર્દીઓને હાલ એક્ટિવ છે અને રજા આપેલા દર્દીઓનો આંક એક સો સોળ નવસારી જિલ્લામાં આજે નવા બે કેસ નોંધાયા છે।